આ કારણે આવતા વર્ષે તેના આઇપીએલમાં રમવાની શક્યતા ઘણી વધી ગઈ છે. સોમવારે રાત્રે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનાવ્યા પછી એમએસ ધોની અમદાવાદથી સીધો મુંબઇ પહોંચ્યો હતો. દિનશો પારડીવાલાએ એમએસ ધોનીની સર્જરી કરાવી એમએસ ધોનીએ પ્રખ્યાત સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન ડો. દિનશો પારડીવાલાની સલાહ લીધી હતી. ડોક્ટર દિનશો પારડીવાલા ભારતીય ક્રિકેટ બોર્ડ ની મેડિકલ પેનલમાં પણ સામેલ છે. વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-ટ્વેન્ટી: સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ? તે ઠીક છે, સવારે ઓપરેશન થયું હતું. મારી પાસે વધારે વિગતો નથી. મારે હજુ વધારે માહિતી મેળવવાની બાકી છે. આ પણ વાંચો – આઈપીએલ ખતમ, હવે ભારતીય ક્રિકેટ ટીમનો આવો છે વ્યસ્ત કાર્યક્રમ રિહેબિલિટેશન પહેલા ધોની ઘરે થોડા દિવસ આરામ કરશે સીએસકે મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે એમએસ ધોનીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ચુકી છે. તે રાંચી ગયો છે. પોતાનું રિહેબિલિટેશન શરૂ થાય તે પહેલાં તે થોડા દિવસો માટે ઘરે આરામ કરશે. આશા છે કે તે આગામી આઇપીએલમાં રમશે. તેમની પાસે ફિટ થવા માટે પૂરો સમય હશે. ધોની આખી સિઝન દરમિયાન ડાબા ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમ્યો હતો. વિકેટકીપિંગ કરતી વખતે તે ઠીક જોવા મળતો હતો પરંતુ બેટિંગ કરવા માટે તે મોટાભાગે આઠમા ક્રમે આવતો હતો અને વિકેટ વચ્ચે દોડમાં લયમાં હોય તેવું લાગતું ન હતું. મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે વિદાય લઈ રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને પાછા ફરવું અને વધુ એક સિઝન રમવી મુશ્કેલ છે. એમએસ ધોનીએ કહ્યું કે શરીર સાથ આપશે તો હું રમીશ. ચેન્નઈના પ્રશંસકોએ જે પ્રકારે મને પ્રેમ આપ્યો, આ તેમના માટે મારા તરફથી એક ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેમણે જે પ્રેમ અને જુસ્સા બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ. ચેન્નઇ સુપર કિંગ્સટ્રેન્ડિંગ ન્યૂઝમહેન્દ્ર સિંહ ધોનીસ્પોર્ટ્સ:। ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ગુજરાત ટાઇટન્સને હરાવી પાંચમી વખત ચેમ્પિયન બની છે. આઈપીએલની આ સિઝનમાં ઘણા યુવા પ્લેયર્સે શાનદાર પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા છે.